હાલ તો મેઈન બ્રાન્ચ ઉપરધ્યાન કેન્દ્રિત રાખવામાં આવ્યું છે. આગામી સમયમાં અલગ અલગ બ્રાન્ચ શરૂ કરાશે તેમજ ફ્રેન્ચાઇઝી પણ આપવામા આવશે. અંતમાં નીરવ માનસેતાએ કહ્યું કે ઘણા વાલીઓને એક પ્રશ્ન રહેતો હોય છે કે પહેલા બાળક ગુજરાતી માધ્યમ ભણે બાદમાં તે અંગ્રેજી માધ્યમમાં ભણવા માટે કેપેબલ હોતો નથી. જો કે રેઈન્બો વર્લ્ડ પ્રિ-સ્કૂલમાં જે બાળકે ગુજરાતીમાં માધ્યમમા અભ્યાસ કરેલો હોય તે આગળ જતા ધો. મા અંગ્રેજી માધ્યમમાં સરળતાથી ભણી શકે છે. અહીં અંગ્રેજી ખુબ સારી રીતે શીખવવામાં આવેછે. પરંતુ ગુજરાતી ઉપર પ્રથમ ભાર મુકાઈ છે. જેથી રેઈન્બો વર્લ્ડ પ્રિ-સ્કૂલને સેમી ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ પણ કહી શકાય છે. એડમીશન અને વધુ માહિતી માટે સંપર્ક કરો નીરવ માનસેતાશિક્ષણમાં ભારતીયતાનું પુનરુત્થાનના સૂત્રને સાર્થક કરતું મોરબીનું માતૃભાષામાં શિક્ષણ આપતું અત્યાધુનિક પ્લે હાઉસ એટલે રેઈન્બો વર્લ્ડ પ્રિ-સ્કૂલ, જુઓ વિશેષ ઇન્ટરવ્યૂ। ગુડ ન્યુઝ મોરબી જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓ હવે પહેલે નંબરે પાસ સરકારી પ્રાથમિક શાળાઓ સુવિધાથી સુસજજ, ગુણવત્તાસભર તેમજ આધુનિક બનવા લાગી મોરબી વરસો પહેલા સરકારી શાળાઓનું સ્તર ખાનગી શાળાઓની તુલનાએ ઘણું ઉતરતું હતું. પ્રાથમિક સુવિધાઓ અને માળખાગત સુવિધાઓના અભાવને કારણે વાલીઓ ખાનગી શાળાઓમાં પોતાના સંતાનોને શિક્ષણ અપાવવા માટે પ્રાથમિકતા આપતા. પરંતુ મોરબી જિલ્લામાં ધીમે ધીમેપરિસ્થિતિમાં સુધારો થતા હાલ સરકારી પ્રાથમિક શાળાઓ પણ ખાનગી શાળાઓની માફક દરેક પ્રકારે વિકાસ પામી છે. અગાઉ સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અનિયમિતતા ઉડીને આંખોને ખૂંચતી હતી. તેની જગ્યાએ હાલ વિદ્યાર્થી તેમજ શિક્ષકોની ઓનલાઈન અને બાયોમેટ્રિક હાજરી પુરવામાં આવી રહી હોવાથી હાજરીની નિયમિતતા જળવાઈ રહી છે. મોરબી જિલ્લામાં જેટલી પ્રાથમિક શાળાઓમાં હાલ હજાર જેટલા વિદ્યાર્થીઓ પાયાનું પ્રાથમિક શિક્ષણ મેળવી રહ્યા છે. સરકારી શાળાઓ સુવિધાથી સુસજ્જ, ગુણવત્તાસભર તેમજ હેતુલક્ષી બનેમાટે શિક્ષણ વિભાગ દ્વારા અનેકોનેક પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાજરીમાં નિયમિતતા આવેમાટે દરરોજ સર્વ શિક્ષા અભ્યાનની વેબસાઈટ પર ઓનલાઈન હાજરી પુરવામાં આવે છે. શહેરી વિસ્તારની કેટલીક શાળાઓમાં પ્રાયોગિક ધોરણે શિક્ષકોની બે વખત બાયોમેટ્રિક હાજરી પુરવામાં આવે છે. તેમજ વિદ્યાર્થીઓને પીવા માટે ચોખ્ખું ઠંડુ પાણી મળી રહેમાટે આર. ઓ. અને વોટરકુલર પુરા પાડવામાં આવ્યા છે. ઉપરાંત મોરબી જિલ્લાની શાળાઓના જેટલા દૂરથી આવતા વિદ્યાર્થીઓ માટે સ્કૂલ બેગના ભાર વગરનું ભણતર મળેમાટે આવા બાળકોને શાળાએ લાવવા લઈ જવા માટે ટ્રાન્સપોર્ટેશન સુવિધા અંતર્ગત ઈકો સ્ટાર, ક્રુઝર જેવા વાહનની વ્યવસ્થા કરવામાં આવી છે.